નવેમ્બર માં પશ્ચિમ સરહદ પર મોટા પાયાના બનાવટી યુદ્ધ કરવા ભારતીય સેના દ્વારા ઓપરેશન બ્રાસટેકસની શરૂઆત થઈ. આ અભ્યાસ ભારતમાં યોજાયેલ સૌથી મોટો અભ્યાસ હતો, જેમાં નવ પાયદળ સિપાહીના હતા, ત્રણ યંત્રનો ઉપયોગ થયો હતો, ત્રણ યુદ્ધ જહાજો અને એક હવાઈ હુમલાકારનો વિભાગ અને ત્રણ બખ્તરધારી સેનાનો સમાવેશ થયો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ ભલે ચોક્કસ લાગતો ન હતો પણ ભવિષ્યના કોઈપણ પ્રકારના પાકિસ્તાન સાથે પરમાણુ સંઘર્ષ કરવા માટે સેનાને તૈયાર કરવાનો હતો, જેની શકયતા ડિહેમ્બરના ભારતીય સંસદભવન પરના હુમલા પછી વધી ગઈ હોય, એવું જણાતું હતું. તેવું જાણવામાં આવ્યું હતું કે આ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ અંબાલા -આધારિત સ્ટ્રાઈક કોર્પ્સની સેનાને સક્રિય રીતે યુદ્ધ માટે તૈયાર કરવાની વ્યુહરચનાઓને માન્યતા આપવાની હતી. હવાઈ સહયોગ આ અભ્યાસનો ભાગ હતો, અને યુદ્ધની રમતોના પ્રદર્શન વખતે સંબંધિત શસ્ત્રોની સાથે સમગ્ર છત્રી દળના સભ્યોની બટાલીયનને હવાઈ જહાજમાંથી હવાઈ છત્રી દ્વારા ઉતારવામાં આવી હતી. કોર્પ્સ ઓફ એન્જીનિયર્સ લશ્કરી એન્જીનિયરીંગની કોલેજ દાપોડી, પૂણેમાં છે. જેના કેન્દ્ર નીચે પ્રમાણે સ્થિત છે બેંગ્લોરમાં મદ્રાસ એન્જીનિયરીંગ કોલેજ , રુરકીમાં બેંગાલ એન્જીનિયર ગ્રુપ , અને ખડકી પૂણેમાં બોમ્બે એન્જીનિયરીંગ ગ્રૂપ્સ. કોર્પ્સ ઓફ આર્મી એર ડીફેન્સ કેન્દ્ર ઓરીસ્સા રાજ્યમાં ગોપાલપુરમાં છે. યાંત્રિક પાયદળ રેજીમેન્ટ કેન્દ્ર અહેમદનગરમાં છે. આર્મી એવીયેશન કોર્પ્સ યાંત્રિક પાયદળ રેજિમેન્ટ મરાઠા લાઇટ્સ ઇન્ફન્ટ્રી શીખ લાઇટ્ ઇન્ફન્ટ્રી જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સ વિભાગ : એક સેના વિભાગ જે કોર્પ્સ અને બ્રિગેડ વચ્ચેનો મધ્યસ્થી હોય છે.